તેણે લખ્યું- 'જાવેદ અખ્તર, શબાના આઝમી, બાબા આઝમી, તન્વી આઝમી દ્વારા આયોજિત પાર્ટીમાં રંગીન હોળીનો આનંદ માણ્યો. નવા લગ્ન સુંદર કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢાને મળ્યા. સૌને હોળીની શુભકામનાઓ. અનુપમ ખેરે લખ્યું: તમારા વિના જીવન પહેલા જેવું નહીં રહે સતીશ કૌશિકના મૃત્યુની માહિતી સવારે ટ્વીટ કરીને આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતાં ખેરે લખ્યું- 'હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે, પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવતો હોઉં ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ વિશે આ વાત લખીશ. પિસ્તાલીસ વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ! હરિયાણામાં થયો હતો સતીશ કૌશિકનો જન્મ સતીશ કૌશિકનો જન્મ તેર એપ્રિલ ઓગણીસસો છપ્પનના રોજ મહેન્દ્રગઢ, હરિયાણામાં થયો હતો. શાળાનું શિક્ષણ દિલ્હીમાં થયું. કિરોરી માલ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પ્રવેશ લીધો. ઓગણીસસો પંચાસીમાં તેણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. તેમના પુત્રનું બે વર્ષની વયે અવસાન થયું. મિસ્ટર ઈન્ડિયાથી મળી પહેચાન સતીશે ઓગણીસસો ત્યાસીમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા તેણે થિયેટરમાં કામ કર્યું હતું. તેઓ અભિનેતા, હાસ્ય કલાકાર, સ્ક્રિપ્ટ રાઈટર, દિગ્દર્શક અને નિર્માતા હતા. સતીશને ઓગણીસસો સિત્યાસીમાં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેણે ઓગણીસસો સત્તાણુમાં દિવાના-મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશને ઓગણીસસો નવાણું માં રામ લખન માટે અને ઓગણીસસો સત્તાણુમાં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. લતા મંગેશકરે શા માટે લગ્ન ન કર્યા? શું આશા સાથે વિરોધાભાસ છે? લતા લગ્ન નહીં કરે, તેણીનો ઉદ્યોગમાં ઝગડો, બહેન આશા ભોંસલે સાથે લડત, લતાને ઈન્ડસ્ટ્રીમાં કોઈની આગળ ન થવા દેવાના આક્ષેપો અમે આ બધા આરોપો પર હંમેશા બહારના લોકોના નિવેદનો વાંચ્યા અને સાંભળ્યા, પરંતુ હવે ખુદ એક મંગેશકર બહેન દેખાઇ છે, જેણે તેની બહેન વિશે સિત્તેર વર્ષોથી ઉદભવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે. લતા, આશા અને ઉષા મંગેશકર સિવાય હજી એક મંગેશકર છે તે છે મીનાતાઇ મંગેશકર. મીનાતાઇ મંગેશકરે હિન્દી ફિલ્મો અને મરાઠી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. તેણીને અન્ય ત્રણ બહેનોની જેમ ખ્યાતિ મળી ન હતી કારણ કે, લગ્ન પછી તેણે ગાવાનું છોડી દીધું હતું અને માત્ર બે બાળકોને ઉછેરવા માટે પોતાનો સમય આપ્યો હતો. મીનાતાઈ મંગેશકરે, હવે ઈઠયાસી વર્ષીય છે, મીનાતાઈ મંગેશકરે દીદી અને હું નામનું એક પુસ્તક લખ્યું છે, જે તેની મોટી બહેન લતા મંગેશકર વિશે છે. મીનાતાઇ મંગેશકરે સ્વપ્નીલ સારસ્વત સાથે વાત કરી. સવાલ: તમારી પુસ્તકમાં એવું નવું શું હશે જે લોકોને પહેલાથી ખબર નથી?